ઑડિયો અને વિડિયો કૉલ અક્ષમ – યો વોટ્સએપમાં, તમને ઓડિયો કૉલ્સ અને વિડિયો કૉલ્સને અક્ષમ કરવાનો વિકલ્પ પણ મળે છે, જે તેને મૂળ વૉટ્સએપ કરતાં અલગ બનાવે છે. એપ્લિકેશન કસ્ટમાઇઝેશન – યો વોટ્સએપમાં, થીમ બદલવા સિવાય, તમે એપના આઇકોન કલર અને ટેક્સ્ટ ડિઝાઇન પણ બદલી શકો છો. સ્ટેટસ ડાઉનલોડ કરો – યો વોટ્સએપ તમને અન્યના સ્ટેટસ પણ ડાઉનલોડ કરવા દે છે. ટાઇપિંગ સુવિધા છુપાવો – અસલ વોટ્સએપમાં આપણે કોઈને મેસેજ ટાઈપ કરીએ છીએ તો તેને ખબર પડે છે કે આપણે મેસેજ મોકલી રહ્યા છીએ, પરંતુ યો વોટ્સએપમાં આપણે આ વાત સામેથી છુપાવી શકીએ છીએ. બ્લુ ટિક છુપાવો – જો તમે નથી ઈચ્છતા કે કોઈને ખબર પડે કે તમે તેનો મેસેજ જોયો છે, તો તમે આ ફીચરનો ઉપયોગ કરીને બ્લુ ટિક અને સેકન્ડ ટિક સરળતાથી દૂર કરી શકો છો. એપ લોક ફીચર – ઘણા લોકો ઇચ્છે છે કે તેમનું વ્હોટ્સએપ કોઈ જોઈ ન શકે, આને ધ્યાનમાં રાખીને, યો વ્હોટ્સએપે ઇનબિલ્ટ એપ લોક બનાવ્યું છે જેથી કરીને તમે તમારા વ્હોટ્સએપને લોક કરી શકો.